તેમણે ઉમેર્યું હતું કે ગરીબને ઘરનું ઘર આપી સરકાર તેને ગરીબીની રેખા બહાર લાવવા માંગે છે ગામના જુના ટિપ્પણો આધારે બાયસેગ દ્વારા સરકારી સરવે નંબરોને સુપર ઇમ્પોઝ કરવામાં આવ્યા છે બારડોલી ખાતે ત્રણ કરોડ રૂપિયા અને કડોદરા ખાતે ત્રણ આજે ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બંધનાર ભાવનગર ભરૂચ અને સુરેન્દ્રનગરના એસટી બસ મથકો તથા ભુજ અને અમરેલી સ્ટાફ કોલોનીનું ખાત મુહૂર્ત પણ કર્યું હતું દસ રાજ્ય સરકાર નવી ટેકનોલોજીના ઉપયોગ વડે નાગરિકોને વધુ સારી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા પ્રતિબધ્ધ છે એફ સ્વરૂપે અપલોડ કરી શકાશે ભાવનગરના જવાહર મેદાન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સુપર એક્સપ્રેસ ગુર્જર નગરી બસો વાહન વ્યવહાર જાગૃતિ શિક્ષણ મોબાઈલ ટીમ વાનનું લોકાર્પણ કર્યું હતું ઓનલાઇન અરજી એકઠી થયા બાદ તેની ચકાસણીના અંતે ભરતીમાં બોલાવવા પાત્ર ઉમેદવારને જાણ કરાશે સેલના હોદ્દેદારો પણ આ કાર્યશાળામાં હાજર રહી મોબાઇલ ફોન વડે કઈ રીતે કામ કરવું તેની સમજણ આપશે ત્રણ ખારાઈ ઊંટની વસતિ મોટાભાગે મુંદ્રા લખપત અબડાસા અને ભચાઉ તાલુકામાં જોવા મળે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાવન કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન સુવિધાવાળા એકવીસ નવા એસટી બસ મથકોનું લોકાર્પણ કરતાં આ મુજબ જણાવ્યું હતું બારડોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઓનલાઇન સંવાદ કરી બસ મથકોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને અપીલ કરી હતી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના વડપણ હેઠળ શ્રી કમલમ ખાતે યોજાનાર આ કાર્યશાળામાં પ્રદેશ જિલ્લા તથા તાલુકા કક્ષાના તમામ હોદ્દેદાર હાજર રહેશે ખારાઈ અને કચ્છી એમ બે પ્રકારના ઊંટની વસતિ બાર હજાર જેટલી કચ્છમાં હોવાથી તેનું આર્થિક મૂલ્ય વધી જાય છે ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા યુવાનોએ પોતાની અરજી પણ ઓનલાઇન કરવાની છે અને તે ઓગણત્રીસ જુલાઈથી બાર ઓગસ્ટ દરમિયાન જોઇન ઇન્ડિયન આર્મી સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ઝરમર વરસાદ બપોર બાદ પડ્યો છે સૈનિક સ્તરે વિવિધ ટ્રેડ માટે યોજાનાર આ ભરતી મેળાની વિગતો જોઈન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર મૂકવામાં આવી છે દ્વારકાધીશને પૂજા અર્ચનાનો લહાવો લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે ઉત્તમ વરસાદ અને ગુજરાત વધુ સમૃધ્ધ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારકાધીશને કરી છે હાલ પાઇલટ પ્રોજેક્ટ તરીકે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના તમામ ગામના સરવે નંબરોનું બાયોગેસ દ્વારા ઇયર માર્કીગ કરી દેવામાં આવ્યું છે રાજ્યભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મોટેભાગે તાપમાન સામાન્ય રહ્યું હતું પણ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ઓગણચાલીસ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જગત મંદિરમાં દ્વારકાધીશને ધ્વજા ચઢાવી હતી ખારાઇ ઊંટની ખાસિયત છે કે વહેતા પાણીમાં તરી શકે છે નવા સભ્યની નોંધણી ઓનલાઇન ધોરણે થવાની હોવાથી આઈ ઇમેલ તથા એસએમએસ દ્વારા તેર ઓગસ્ટ સુધીમાં ઉમેદવારોને જાણ કરવાનું આયોજન છે મીડિયા કિન્વનર પ્રશાંત વાળાએ બહાર પાડેલી યાદીમાં જણાવાયું છે કે છ થી અગિયાર ઓગસ્ટ દરમિયાન યોજાનાર સંગઠન પર્વ માટે ખાસ માર્ગદર્શન આપવા માટે પ્રભારી તથા રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ ખાસ હાજર રહેશે।